કહીને તે હસવા લાગ્યાં. વસુંધરાનાં હ્નદયમાં આ યુવાન વિશે જાણવાની તાલાવેલી વધતી જ જતી હતી. બપોરનું ભોજન કરીને બંને સખી આરામ કર્યા બાદ સાંજે આ બેટ પર વિહાર કરી રહ્યાં હતાં. થાક અનુભવતાં એક પથ્થર પર બેસીને નીચે પગ હલાવી રહ્યાં હતાં અને સામે પેલો યુવાન ઝગડતાં સાંઢને છોડાવા વચ્ચે પડી બળ અને વ્હાલથી તેમણે શાંત કરીને ચાર ખવડાવતો દેખાતો હતો. તેવામાં અચાનક રાજકુમારી મધુમતીનો પગ અજાણતાં જ પથ્થરની નીચે બખોલમાં ગુંચળું વાળીને પોઢેલા ઝેરી કોબ્રા નાગને જરીક અથડાયો. કોબ્રા આફત સમજીને ફેણ ચડાવી. રાજકુમારી આ બાબતથી સાવ અજાણ હતાં. તેવામાં એક કૂતરો આ જોઈને જોરથી ભસવા લાગ્યો. અવાજ સાંભળતાં જ બીજા કુતરાંઓ પણ ભસવા લાગ્યાં. પેલો વીર અચાનક રાજકુમારી તરફ દોડ્યો અને ભસતાં કુતરાં સામે જોતાં સમજદાર કુતરાના ઇશારાથી તે કુંવરીઓના પગમાં કાળઝાળ બનીને ડંખ દેવા તૈયાર થયેલો કોબ્રા નાગને જોઈ ગયો અને વીજળી વેગે "કુંવરીબા સાવધાન, નાગ" કહેતો તે તરફ દોડ્યો. પણ તેને પોતાનાં તરફ અચાનક દોડતો આવતો જોઈ જંગલની અનુભવી વસુંધરાએ પગ ઉપર લઈ લીધા પણ ચમકીને રાજકુમારી મધુમતી નીચે પગ મૂકીને ઊભાં થયાં. એ લાગ જોઈને એ કાળોતરાએ મધુમતીનાં પગનાં અંગુઠા પર ડંખ માર્યો. આ કાળોતરો વઘુ દાંત દબાવે તે પહેલાં જ વીર પગમાં બેસીને તેનું મોઢું દબાવીને પકડીને ખેંચી લીધો અને દુર ફેંકી દીધો. રાજકુમારી આ જોઈને ખુબ જ ગભરાઈ ગયાં અને વસુંધરાએ સૈનિકોને પોકારતાં સહુ દોડતાં આવ્યાં, અને આ ઝેરી કાળોતરો કરડ્યો હોવાનું સાંભળીને જ સહુ હિંમત હારી ગયાં, કેમ કે તે કરડે એટલે માણસ પાણી પણ ન માંગે એવું સહુ માનતા હતાં. પણ વીર અને વસુંધરા મધુમતીને બચાવવાં પ્રયાસ કરવા લાગ્યાં. વસુંધરાએ પોતાનો પાલવનો છેડો ચીરીને અંગુઠા પર કસીને બાંધી અને વીરે પોતાની કેડમાંથી છૂરો કાઢી અંગુઠા પર કાપો મૂકી લોહી બહાર કાઢવાં લાગ્યો. થોડીવાર પછી મધુમતી ઝેરની અસરથી બેહોશ થવાં લાગ્યાં. વીર વસુંધરા સામું જોઈને બોલ્યો,"આપ તેમને બોલાવતાં રહો, ત્યાં સુધી હું દવા મંગાવી દઉ" તેમ કહીને વીર સત્તાવહી અવાજમાં બોલ્યો,"સૈનિકો જાવો અંદર મકાનમાં મારો થેલો લટકે છે, તે સત્વરે અહીં હાજર કરો." સૈનિકોને આ આજ્ઞા કરતો હોય તેમ બોલતો જોઈને રીસ ચડી પણ આ સમય રાજકુમારીનો જીવ બચાવવાનો હોવાથી તે ચુપચાપ દોડીને થેલો હાજર કર્યોં. વીરભાઈએ તરત જ એક દવાની શીશી કાઢી અને એક મીઠાનો ગાંગડો પહેલાં તે ભાગ પર ઘસવાં લાગ્યો. આ તરફ રાજકુમારી હવે બેહોશીમાં જતાં હતાં. થાકીને સમજદાર વસુંધરાએ ચિંતિત બનીને આંખમાં આંસું સાથે હાથ જોડીને વીરને